આથી, ફરીવાર, ન્યૂનતમ મોરના ઘરની સજાવટના વિચારો મુખ્ય ઉકેલ આપે છે. તમે મોરની દિવાલો અને પૂરક સફેદ ટોન એસેસરીઝના સમાન વિરોધાભાસી સંતુલનને અનુસરવાનું પસંદ કરી શકો છો અથવા તમારી પાસે પૂરક સફેદ ટોનની એસેસરીઝ સાથેની મોર રંગની દિવાલો હોઈ શકે છે. તદુપરાંત, તમારો ક્રોકરી સેટ પણ તેનાથી વિપરીત સારી રીતે વ્યાખ્યાયિત થયેલ હોવો જોઈએ. ગ્લેમના આડંબર માટે, તમે તમારા ફર્નિચરમાં સોનેરી અથવા ચાંદીની રૂપરેખા ઉમેરવાનું પણ પસંદ કરી શકો છો જે તમારા ડાઇનિંગ રૂમમાં ખૂબજરૂરી ચમક ઉમેરશે. તદુપરાંત, કાચ અથવા પથ્થરની સજાવટ સાથેનું કેન્દ્રિય ડાઇનિંગ ટેબલ મોરના ઘરની સજાવટ સાથે સારી રીતે જશે, જે તમારા ડાઇનિંગ રૂમમાં વધુ કુદરતી દેખાવ લાવશે. બાથરૂમ માટે પીકોક હોમ ડેકોર બાથરૂમ માટે પીકોક હોમ ડેકોર બાથરૂમ પોતાને માવજત કરવા અને સ્વચ્છતા જાળવવા માટેની વ્યક્તિગત જગ્યા છે. પ્રાચીન કાળથી, બાથરૂમને એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે જ્યાં વ્યક્તિ તેના શરીરની બધી દૂષિતતા અને ગંદકીને ધોઈ નાખે છે. તદુપરાંત, ઘણી સંસ્કૃતિઓ બાથરૂમને અરીસાઓ દ્વારા ઉત્પાદિત પ્રતિબિંબ દ્વારા પોતાની સાથે જોડાવા અને પોતાને સ્વીકારવાની જગ્યા તરીકે માને છે. તેથી, જો તમે તમારા વૉશરૂમ માટે પણ મોરનાં ઘરની સજાવટ પર આધારિત થીમ પર વિચાર કરી રહ્યાં છો, તો તમારે સજાવટને તટસ્થ રાખવી જોઈએ જેથી કરીને તમે રંગોથી પ્રભાવિત થયા વિના તમારો ચહેરો સ્પષ્ટપણે અરીસામાં જોઈ શકો. જો તમે તમારા બાથરૂમની દિવાલો માટે મોરનાં ઘરની સજાવટ માટે જઈ રહ્યાં છો, તો તમારી પાસે સફેદ ટોન હોવો જોઈએ. તમે અરીસામાં પીકોક બોર્ડર્સ ઉમેરવાનું પસંદ કરી શકો છો, અન્યથા સફેદ વૉશબેસિનમાં ઓમ્બ્રે પીકોક એસ્થેટિક ઉમેરો અને તમારા નળ અને શાવરને કલર-કોડ પણ કરી શકો છો. તેવીરીતે, જો તમે હાથીદાંતના શેડવાળા બાથરૂમ માટે જઈ રહ્યાં હોવ, તો ખાતરી કરો કે પડદા અને ડોરમેટ જેવી અન્ય એસેસરીઝ મોર રંગની છે. આ સંતુલન બનાવશે અને આંખો માટે દ્રશ્ય તહેવાર સાબિત થશે. પીકોક કલર હોમ ડેકોર સ્ટાઇલ ગાઇડ ઘરની સજાવટ માટે પીકોક કલરનો ઉપયોગ કરતી વખતે, અહીં કેટલીક શૈલીઓ અને સંયોજનો છે જે તમે તમારી જગ્યાને જાઝ કરવા માટે સમાવી શકો છો. રોયલ અને હાઇ-એન્ડ લુક માટે સોનાના સંકેત સાથે પીકોક બ્લુ કલર ફર્નિશિંગ સાથે તમારી સાદી રહેવાની જગ્યાને ઉત્સાહિત કરો. દિવાલ પર અથવા દિવાલ પરના કોઈ વિભાગને મોર વાદળી રંગથી હાઇલાઇટ કરો અને તમારી જગ્યાને જીવંત બનાવવા માટે તેને સફેદ કિનારીઓ સાથે મેચ કરો. તેના દેખાવને વધુ બહેતર બનાવવા માટે છત પરથી ઓછી લટકતી સોનેરી લાઇટો ઉમેરો. જો તમારા ઘરનું રાચરચીલું ન્યુટ્રલ શેડ્સનું હોય, તો ઉચ્ચ પ્રભાવવાળા નિવેદન બનાવવા માટે તેને પીકોક બ્લુ ડેકોર